રાજ્યમાં સરકારી શાળાઓમાં શિક્ષણસ્તર સુધારવા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ ગુણોત્સવના સારા પરિણામો મળવા શરૂ થયા છે જેમાં મોરબી જિલ્લામાં શિક્ષણનું સ્તર સુધરવાની સાથે સરકારી શાળાના શિક્ષકો ખાનગી શાળાઓને હંફાવવામાં સફળ રહ્યા હોવાનું સરકારી આંકડા પરથી સ્પષ્ટ બની રહ્યું છે. મોરબી જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષણસ્તર સુધરે તે માટે શાળા, ક્લસ્ટર, બ્લોક, અને જિલ્લાકક્ષાએ સતત મોનીટરીંગ કરી શાળામાં શિક્ષકોનું મહેકમ વધારવાથી લઈ ભૌતિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી હોવાનું શિક્ષણ વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે. ઉપરાંત મોરબી જિલ્લામાં સરકારી શાળાઓનું શિક્ષણસ્તર સુધારવામાં શિક્ષકોની ફરજનિષ્ઠાને પણ એટલીજવાબદાર માનવામાં આવે છે અને એથીસમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ શિક્ષકોના એવોર્ડ મેળવવામાં મોરબી જિલ્લાના કર્તવ્યનિષ્ઠ શિક્ષકો છવાયા છે. નોંધનીય છે કે રાજ્યભરમાં શિક્ષણના નમે વેપાર કરવા બેઠેલી ખાનગીશાળાઓની બોલબાલા છે ત્યારે મોરબી જિલ્લામાં જવાબદાર સરકારી શાળાઓના ફરજનિષ્ઠ શિક્ષકોને કારણે ઉલટી ગંગા રૂપે ચાલુ વર્ષે હજારો બાળકો ખાનગી શાળા છોડી સરકારી શાળામાં અભ્યાસ કરતા થયા છે. ટંકારા તાલુકાનું ગુણોત્સવમાં ખૂબ સારું પરિણામ ટંકારા ગત એપ્રિલ માસમાં સમગ્ર રાજ્યમાં યોજાયેલ ગુણોત્સવ નું પરિણામ બે દિવસ પહેલા જાહેર થયુંજેમાં સમગ્ર ટંકારા તાલુકાનું ખૂબ સારું પરિણામ આવ્યુ છે. તાલુકાની સરકારી પ્રાથમિક શાળા તેમજ ગ્રાન્ટેડ શાળા મળીને કુલ પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ અંતર્ગત તમામ બાળકોનું વાંચન લેખન અને ગણનનું મૂલ્યાંકન થયું હતું.